તેમના વિરોધીઓ આના આશ્ચર્યમાં છે હજી પણ કાર્યક્ષમતામાં પ્રયાસ કરવા માટે. લંડનની એક ટેક કંપની વર્વે ખાતે સી.ઇ.ઓ જે બધું ચાલે છે એના વિશે પરિમાણ કાઢે છે પરંતુ તેણીને એવું કંઈપણ મળ્યું નહીં કે જેણે કોઈ ફરક પાડ્યો કંપનીની ઉત્પાદકતા માટે. તેથી તેણીએ એક પ્રયોગ કર્યો જેને "લવ વીક" કહે છે. એક આખું અઠવાડિયું જ્યાં દરેક કર્મચારીએ ખરેખર હોંશિયાર શોધવાની રહેશે, સહાયક, કાલ્પનિક વસ્તુઓ જે સમકક્ષ કરે છે. તેને બોલાવો અને ઉજવો. તે ખૂબ સમય અને પ્રયત્નો લે છે. ઘણા લોકો તેને વિચલિત કહે છે પરંતુ તે ખરેખર વ્યવસાયને ઉત્સાહિત કરે છે અને આખી કંપનીને વધુ ઉત્પાદક બનાવે છે. તૈયારી, જોડાણ-મકાન, કલ્પના, પ્રયોગો, બહાદુરી, અણધાર્યા યુગમાં, આ સ્થિતિસ્થાપકતા અને શક્તિના જબરદસ્ત સ્રોત છે. તેઓ કાર્યક્ષમ નથી પરંતુ તેઓ અમને અમર્યાદિત ક્ષમતા આપે છે અનુકૂલન, વિવિધતા અને શોધ માટે અને આપણે ભવિષ્ય વિશે ઓછું જાણીએ છીએ જેમ વધુ આપણને આ જબરદસ્ત સ્ત્રોતોની જરૂર પડશે માનવની, અવ્યવસ્થિત, અણધારી કુશળતા. પરંતુ તકનીકી પર આપણાં વધતા અવલંબનમાં આપણે તે કુશળ સંપત્તિ છીનવી રહ્યા છીએ. દરેક વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ નિર્ણય અથવા પસંદગી દ્વારા નજરે ચડવા માટે અથવા કોઈની લાગણી સમજવા માટે અથવા વાતચીત દ્વારા માર્ગદર્શન આપવા માટે. આપણે મશીનને આઉટસોર્સ કરી શકીએ છીએ, આપણે જાતે કરી શકીએ છીએ અને તે એક મોંઘો વેપાર છે. જેટલું આપણે મશીનોને આપણા માટે વિચારવા દઈએ છીએ, તેટલું જ ઓછું આપણે આપણા માટે વિચારીએ છીએ. વધુ ડોકટરો ડિજિટલ મેડિકલ રેકોર્ડ્સને જોવા માટે જેટલો વધુ સમય પસાર કરે છે, તેટલો ઓછો સમય તેઓ તેમના દર્દીઓ તરફ જોવામાં ખર્ચ કરે છે. આપણે પેરેંટિંગ એપ્લિકેશનનો જેટલો ઉપયોગ કરીએ છીએ, તેટલા જ ઓછા આપણે આપણા બાળકોને જાણીએ છીએ. અમે જેટલો વધુ સમય લોકો સાથે વિતાવીએ છીએ જે અમે આગાહી અને પસંદગી માટે પ્રોગ્રામ કરેલ છે, તેટલા ઓછા આપણે આપણાથી જુદા લોકોથી કનેક્ટ થઈ શકીએ છીએ. અને આપણને જેટલી ઓછી કરુણાની જરૂર છે, તેટલી ઓછી દયા આપણામાં છે. આ તમામ તકનીકો શું કરવાનો પ્રયાસ કરે છે ધારી વાસ્તવિકતાના માનક મોડેલને દબાણપૂર્વક ફિટ કરવા માટે એ વિશ્વ પર જે અનંત આશ્ચર્યજનક છે. શું બાકી છે? કંઈ પણ કે જે માપી શકાતું નથી, જે ગણી શકાય તે બધું જ છે. તકનીકી પર આપણું વધતું અવલંબન ઓછા કુશળ બનવાનું જોખમ છે. હવે, હું તણાવ અને અશાંતિની ચરમસીમા વિશે વિચારતી હતી.